ફરિયાદમાં મહિલાએ કહ્યું- હું ડ્રોઈંગ રૂમમાં હાજર હતી જ્યાં કૌશિક અને મારા પતિ બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. કૌશિક કહી રહ્યો હતો કે તેને પૈસાની સખત જરૂર છે. તેણે મારા પતિને રોકાણના હેતુ માટે પંદર કરોડ રૂપિયા આપ્યા તેને ત્રણ વર્ષ થયા છે. કૌશિકે એમ પણ કહ્યું હતું કે, ન તો કોઈ રોકાણ કરવામાં આવ્યું હતું અને ન તો તેના પૈસા પરત કરવામાં આવ્યા હતા, જેના માટે તે છેતરાયા હોવાનું અનુભવે છે. તેણે દુબઈમાં એક પાર્ટીમાંથી બિઝનેસમેન અને કૌશિકની તસવીર પણ શેર કરી હતી. મહિલાનો આરોપ છે કે, પાર્ટીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પુત્ર પણ હાજર હતો. ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, તેનો પતિ અનેક પ્રકારના ડ્રગ્સનો ધંધો કરે છે. મારા પતિએ કૌશિકને વચન આપ્યું હતું કે તે જલ્દી પૈસા ચૂકવી દેશે. જ્યારે મેં મારા પતિને પૂછ્યું કે મામલો શું છે, ત્યારે તેણે કહ્યું કે તેણે કોવિડ રોગચાળા દરમિયાન કૌશિકના પૈસા ગુમાવ્યા. મારા પતિએ કહ્યું કે તે કૌશિકથી છૂટકારો મેળવવાની યોજના બનાવી રહ્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે, ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વેપારીની કૌશિક સાથે પૈસાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિએ કૌશિકને કહ્યું હતું કે ચૂકવણી થઈ ચૂકી છે, તેથી તેનો કોઈ પુરાવો નથી, પરંતુ તે તેને ચૂકવવા તૈયાર છે, જેના માટે તેને સમયની જરૂર છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, "પછી મેં કૌશિકને મારા પતિને કહેતા સાંભળ્યા કે તેણે તેને પ્રોમિસરી નોટ આપી હતી. હવે કૌશિકના મૃત્યુના સમાચાર વાંચ્યા. મને ભારપૂર્વક શંકા છે કે મારા પતિએ જ તેના સાથીદારો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને કૌશિકને નશીલા પદાર્થ આપીને મારી નાખ્યા હતા. જેથી તેણે પૈસા પાછા ન ચૂકવવા પડે. પોલીસ અધિકારીઓએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાર્મહાઉસમાં પાર્ટીમાં સામેલ થયેલા પચ્ચીસ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.